એક વાર હોડી ઉંધી પડી ગઈ અને બધા પાણીમાં ડૂબી ગયા અને બચાવ માટે બૂમો પાડવા લાગ્યા. નજીકમાં કામ કરી રહેલા માળીએ તરત જ તળાવમાં કૂદીને બધાને બચાવી લીધા. વિક્રમ અભ્યાસમાં તીવ્ર રુચિ અને ઉત્સુકતા દાખવતા. તેઓ ખુબ જ ઉત્સાહથી ગણિત અને વિજ્ઞાન ભણતા. એમના શિક્ષકો કહેતા કે તેઓ બિલકુલ આળસ કર્યા વગર મહેનત કરતા અને રજાઓમાં પણ અભ્યાસ કરતા જેથી તેઓ અન્ય વિદ્યાર્થીઓ કરતાં ઘણા જ આગળ રહેતા. આ બાળ વૈજ્ઞાનિકે એક સ્ટીમ એન્જીન પણ બનાવ્યું હતું. આ એન્જીન હાલમાં વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત અમદાવાદના કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં રાખવામાં આવેલ છે જેથી બાળકોને આવી રીતે પ્રયોગો કરીને અને આવા મોડલ બનાવીને વિજ્ઞાન શીખવામાં પ્રોત્સાહન મળે. એક વખત કેટલાક વિદ્યાર્થીઓ એક નાની પ્રયોગશાળામાં પ્રયોગ કરી રહ્યા હતા. એક પ્રયોગ દરમ્યાન ભારે વીજપ્રવાહને લીધે મીટર સળગી ગયું. તે દિવસોમાં આવું મીટર સહેલાઇથી નહોતું મળતું. આ એક મીટર બળી જવાથી ઘણા અગત્યના પ્રયોગો મહિનાઓ સુધી બંધ રાખવા પડયા. વિક્રમ સારાભાઈએ થોડા સમય પહેલાં જ આ પ્રયોગશાળા સ્થાપી હતી એટલે વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા કે એમને આ વાતની જાણ થશે ત્યારે તેઓ શું કહેશે. પરંતુ એમને જયારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ બિલકુલ ગુસ્સે ન થયા. એમના ચહેરા પર ઉશ્કેરાટ કે સંતાપના ભાવ પણ ન આવ્યા. તેના બદલે એમણે ખુબ જ સ્વસ્થતા રાખીને કહયું, "બસ એટલું જ? મન પર આનો બહુ ભાર ના લેશો. વિદ્યાર્થીઓ કાઇંક શીખતા હોય ત્યારે આવું બધું તો થયા કરે. વિદ્યાર્થીઓ ભૂલ ન કરે તો શીખે કેવી રીતે? ભવિષ્યમાં તમે વધારે કાળજી રાખતાં શીખો એટલું પૂરતું છે. " વિક્રમ સારાભાઈએ સતીશ ધવન અને અબ્દુલ કલામ જેવા યુવાનોને કાંઈક નવીન શોધવા પ્રોત્સાહન આપીને એમને સફળ વૈજ્ઞાનિક બનાવ્યા. રવિન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોર ભારતના એક ખ્યાતનામ મહાપુરુષ છે જેમને એમના "ગીતાંજલિ" કાવ્ય માટે સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું હતું. તેઓ દુનિયાના એક માત્ર એવા કવિ છે જેમણે બે દેશોના રાષ્ટ્રગીત લખ્યાં છે ભારતનું 'જન મન ગણ' અને બાંગ્લાદેશનું 'ઓમાર સોનાર બાંગ્લાદેશ'. રવિન્દ્રનાથનું બાળપણ બાળક રવિન્દ્ર હંમેશા દૂર દૂરના સ્થળોના દિવા સ્વપ્નો જોયા કરતા. એમનો કુદરત પ્રત્યે ઘણો જ લગાવ હતો. બીજા બધા જયારે અન્ય કામોમાં વ્યસ્ત હોય ત્યારે તેઓ કુદરતને ભરપૂર માણતા. તેઓ મનભરીને તળાવ, વડલા, નાળિયેલીની ઘટા જોયા કરતા. એમને વાર્તાઓ, દંતકથાઓ, જોડકણાં અને ગીતામાં પણ ભરપૂર આનંદ મળીઓતો. રવિન્દ્રનાથને ઘણી નાની વ્યયથી જ લોકગીતો, પાશ્ચાત્ય સંગીત અને સાહિત્યનો પરિચય કરાવવામાં આવ્યો હતો. તેઓ બાળમંદિરમાં સૌપ્રથમ જોડકણું શીખ્યા ત્યારથી જ એમને કવિતાઓના જાદુ સપર્શી ગયો હતો.